પ્રેમ, પ્રેમ! ડોક્ટર પારેખને આશ્ચર્ય થતું હતું કે આવું બને જ કઈ રીતે? છેલ્લા ત્રીસ વર્ષની એમની કારકિર્દીમાં એમને આવું જોયુ જ ન હતું. હા,જો કે એક વાત નિશ્ચિત હતી કે જોડકા બાળકોમાં રોગ સરખો હોય, દેખાવ પણ સરખો હોય. સામાન્ય રીતે દવાની અસર પણ સરખી થતી હોય છે. પરંતુ મોક્ષા અને મુદ્રાના કેસમાં આવું ના બન્યું. ડોક્ટર છેલ્લા કેટલાય વર્ષોથી આ કુટુંબને ઓળખતા હતા. અમુક રોગ વારસાગત હોય છે. એમને ખબર હતી કે આ બંને જોડકા બહેનોની મમ્મીને પણ આ જ તકલીફ હતી. એમને તો ઉત્તમ ડોક્ટરની દવા કરવાનું કહ્યું હતું પરંતુ એના મમ્મી કહેતા હતાં કે,"મને બધા કરતાં માત્ર તમારી પર જ વિશ્વાસ છે." તેથી જ એમને બધા રિપોર્ટ ત્યાંના ઉત્તમ ડોક્ટરોને બતાવીને એના મમ્મીનો કેસ સ્ટડી કર્યો હતો. જો કે સાથે-સાથે ફિજીયોથેરેપી પણ ચાલુ હતી. એવી જ રીતે આ બંને બહેનોને એ જ તકલીફ હતી. પરંતુ એમને એક વાત સમજમાં આવતી ન હતી, બંને બહેનોને રોગ સરખો, દવા પણ સરખી, છતાંય મોક્ષા જલ્દી સાજી થઈ રહી હતી અને મુદ્રાની તબિયત દિવસે-દિવસે વધુને વધુ બગડતી હતી. એક ડોક્ટર માટે આ વાતનું બહુ મોટું આશ્ચર્ય હતું. બંને બહેનો જોડકા ભાઈઓ સાથે જ પરણી હતી, અને બાજુ-બાજુના ઘરમાં જ રહેતા હતા. મનમાં તો ઘણીવાર થતું કે એ બાબતમાં જાતે જઈને તપાસ કરે. એકવાર એમને એ બાજુ જવાનું થયું અને મનમાં ઘણા વખતથી જે બાબતમાં વિચાર કરતા હતાં એટલે એ જાતે જ બંનેને ઘેર ગયા. બંને બહેનોને સાંધાનો વા હતો. જો કે સાસરીનું કુટુંબ ખાનદાન અને પ્રેમાળ હતું. બંને બહેનો સુખી જ હોય એમાં તો કોઈ શંકા કરવાની જ ના હોય. જ્યારે ડોક્ટર તેમના ઘેર પહોંચ્યા ત્યારે મુદ્રા પલંગ પર સૂઈ રહી હતી. ડોક્ટર ને જોતા જ બોલી,"અંકલ, તમારા આવવાથી મને ઘણું સારું લાગ્યું. તમે બેસો, હું એમને કહું છું કે તમારા માટે ચા બનાવે." થોડી આડીઅવળી વાતો કરી પણ એ દરમ્યાન એમણે જોયું કે મુદ્રાના હાથ તથા પગની આંગળીઓ ઘણી બધી વળી ગઈ છે. ડોક્ટરને ફરિયાદના સૂરમાં કહી રહી હતી કે, "અંકલ, મારા પતિ મને એટલો બધો પ્રેમ કરે છે કે મને કશું જ કામ કરવા જ નથી દેતાં. દીકરીનો પણ સાસરેથી ફોન આવે તો એક જ વાત કરશે, "મમ્મી, તારે બિલકુલ આરામ જ કરવાનો છે." ફિઝિયોથેરાપી માટે એક છોકરી આવતી હતી પણ એનાથી મને દુખાવો થતો હતો એ મારા પતિ કે દીકરી જોઈ ના